ઓક્રિડ, બેનાઉલમ સાઉથ ગોવા: સવારના સાડા પાંચ વાગ્યાનો સમય. એક ભવ્ય વિલાની અંદર અલાર્મ વાગી રહ્યું હતું. સુંદર સપનાઓની ઊંઘ તોડીને એક સાઈઠ વર્ષનો વૃદ્ધ પુરૂષ ઉભો થયો. ઘડિયાળ સામે જોયું, "જલ્દી તૈયાર થવું પડશે, નહીં તો આજે પણ મિસ થઈ જશે." કંઈક આવું બબડીને તે તરત તૈયાર થવા માટે ઉભો થયો. તેનું 'રાલ્ફ લોરેન બ્લેઝર' વૃદ્ધાવસ્થાને સંપૂર્ણ રીતે હાઇડ કરી લે એટલું સક્ષમ હતું. બે સેકન્ડ માટે તે અરીસામાં પોતાને જ જોઈ રહ્યો. હાથમાં રોલેક્સ વોચ પહેરી, ઝરપથી પોતાના વિલાની બહાર નીકળી પોતાની "રોલ્સ રોયલ ડાઉન" કારમાં બેઠો. બાજુની સીટ પર તેણે નજર નાખી, અને એક નિસાસા સાથે કાર સ્ટાર્ટ કરી તે આગળ વધ્યો. આ સાઈઠ વર્ષનો વ્યક્તિ એટલે રોબર્ટ ડિસુકા. ગોવાની સૌથી મોંઘી પ્રોપર્ટીનો માલિક. આલ્કોહોલના નાના બિઝનેસથી સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચેલો, આ વ્યક્તિ 'ફાતોરડા' માં આવેલી એક પ્રોપર્ટીની ડીલ કરવા માટે આજે તે વહેલો નીકળ્યો હતો. કાર અત્યારે હાઇ સ્પીડની સોફ્ટ રીતે આગળ વધી રહી હતી. સાઉથ ગોવા એકંદરે શાંત છે, રસ્તાઓ પણ ઘણા સૂમસામ છે, અને વ્યક્તિઓની ભીડ પણ બહુ ઓછી જોવા મળે છે. અચાનક તેનું ધ્યાન રસ્તામાં ઊભેલી એક કાર પર પડ્યું. કાર કદાચ બગડી ગઈ હોય તેવો તેના અંદાજ લગાવ્યો. હેલ્પ કરવાના આશયથી તેણે કાર સાઇડમાં રોકી કારમાંથી તે નીચે ઊતર્યો. ધીમે-ધીમે તે આગળ વધ્યો. એક અઠાવન વર્ષની લેડી ફોન પર ફોન લગાવી રહી હતી, કોઈની હેલ્પ માટે સતત બબડી રહી હોય તેવું તેને લાગ્યું. "મે આઈ હેલ્પ યુ?" રૉબર્ટે આદર્શપૂર્વક પૂછ્યું. તે લેડીએ અચાનક પાછળ જોયું અને રોબર્ટે લેડી તરફ. રોબર્ટના બે પગલાં અચાનક પાછળ જતા રહ્યા. તેના ચહેરા પર એક ડર છલકાયો. આંખો થોડી ડાયલેટ થઈ ગઈ. "મારે ફાતોરડા જવાનું છે અને મારી કાર અચાનક બંધ થઈ ગઈ, કેન યુ હેલ્પ મી? મને લઈ જશો ત્યાં સુધી? પ્લીઝ!" એ લેડીએ વિનતી કરી. આ પ્લીઝ બોલવાની સ્ટાઈલ રૉબર્ટે પહેલા પણ ક્યાંક સાંભળી હતી. "હા સ, સ, સ્યોર!" અટકાતા-અટકાતા રોબોર્ટ બોલ્યો.. એ લેડી રોબોર્ટની કારમાં બેઠી. રોબોર્ટ ત્રાંસી નજરથી તેને જોઈ રહ્યો હતો. "આપણે જઈએ હવે તો સારૂ રહેશે!" લેડીએ થોડુ ગુસ્સાથી કહ્યું. અને કાર સ્ટાર્ટ થઈ. " 'જેની ક્રિસ્ચયન' મારૂ નામ. અહીં સાઉથ ગોવામાં જ રહું છું, અને તમે?" રોબર્ટે જાણે ભૂત જોયું હોય તેમ જેનીને જોઈ રહ્યો. " 'રૉબર્ટ ડિસુકા', હું પ્રોપર્ટી ડીલર છું, અને લાઈકરનો મારો બિઝનેસ પણ છે." રૉબર્ટ બોલ્યો. "તમે શું કરો છો જેની?" રૉબર્ટે પૂછ્યું. "આઈ